આ ઉપરાંત પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ તેમના માટે મુશ્કેલીનો વિષય બની રહ્યો છે. ગેહલોત વિ પાયલટની કહાની એટલી જૂની થઈ ગઈ છે કે તે હવે ટીવી ન્યૂઝ ચેનલો પર હેડલાઈન્સ નથી બનાવતી. પરંતુ આ હોવા છતાં, ત્યાં સુધી ભાજપ જીતવાની સ્થિતિમાં નથી, જ્યાં સુધી તે પૂર્વ સીએમ વસુંધરા રાજેને તેના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે જાહેર ન કરે. વસુંધરા રાજે રાજ્યમાં એટલા શક્તિશાળી છે કે, મોટાભાગના ધારાસભ્યો તેમની તરફેણમાં છે અને તેમણે બેહજાર અઢારમાં ગૃહ પ્રધાન અમિત શાહના નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો. જો ભાજપ ખરેખર કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈ અને સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવા માંગે છે, તો તેણે વસુંધરા રાજેને જ રાજ્યના મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજૂ કરવાની જરૂર છે, જ્યાં રાજવી પરિવાર પ્રત્યેની વફાદારી હજુ પણ આદર્શ છે. છત્તીસગઢમાં નેતૃત્વ સંકટ, છત્તીસગઢ બીજેપી માટે સૌથી મુશ્કેલ રાજ્ય લાગી રહ્યું છે. બધા જ ઓપિનિયનમાં ભાજપ હારી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ, છત્તીસગઢમાં પણ ભાજપ તેની હાજરી વધુ મજબૂત કરી શકે છે. આ માટે તેમણે ત્યાં મજબૂત સીએમ ચહેરાની જરૂર છે, જે ગ્રાઉન્ડ લેવલ પર હાજર હોય. હાલમાં, છત્તીસગઢને લઈને ભાજપ માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, તેનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! એંસી ટકા જિલ્લાઓમાં કરશે આ કામ પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ હાલમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, જે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે અને ગ્રાઉન્ડ લેવલ પર ભાગ્યે જ જોવા મળે છે. સાથે જ તેમની ટોળકી પણ ગાયબ થઈ ગઈ છે. જ્યારે વિપક્ષના નેતા નારાયણ ચંદેલ એટલા લોકપ્રિય નથી અને ભાજપના પ્રદેશ પ્રમુખ અરુણ સાઓએ કાર્યકરો સાથે એવો તાલમેલ બાંધ્યો નથી કે, જે તેમને જન નેતા બનાવી શકે. જોકે બંને નેતાઓ ઓબીસી છે. એવું લાગે છે કે, બીજેપીના મનમાં અન્ય એક ઓબીસી નેતા છે, જેમણે જમીન પર તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, જે ભાજપને આનંદ અપાવી શકે છે. ઓપી ચૌધરી જે પૂર્વ આઈપીએસ અધિકારી છે, જે હાલમાં રાજ્યના મહાસચિવ તરીકે સેવા આપી રહ્યા છે. યુવા, સ્વચ્છ અને કાર્યકરોમાં પ્રમાણમાં લોકપ્રિય એવા ઓ. પી. ચૌધરી ભાજપ માટે શ્રેષ્ઠ દાવ બની શકે છે. ગુજરાત વરસાદ આગાહી અપડેટ: હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર! શનિવારે ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ માટે રેડ એલર્ટ. રાજ્યમાં સમગ્ર જિલ્લામાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે.